આ લેખમાં, આપણે એ પણ સમજીશું કે એવી કઇ આંટીઘૂંટીઓ છે જેને ટ્રેડિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. ઇન્ટ્રાડે ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટમાં રોકાણ વચ્ચે શું તફાવત છે? ઈન્ટ્રા-ડે ટ્રેન્ડિંગ અને સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટમેન્ટ વચ્ચે આકાશ-જમીન જેટલો તફાવત છે. સામાન્ય રીતે રોકાણ તેને કહેવાય છે, જ્યાં તમે તમારી મૂડીનું લાંબા ગાળા માટે રોકાણ કરો અને તે થાપણો પર થોડુંક વળતર મેળવો છે. આ રોકાણ ઘણા વર્ષો સુધી ચાલે છે પરંતુ ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં આ બધું એક દિવસમાં થાય છે. થોડી મિનિટો કે કલાકોની રમતમાં, તમે નફો કમાવો છો અથવા નુકસાન સહન કરો છો. સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ સૌરવ સુલતાનિયા ફાઇનાન્શિયલ એક્સપ્રેસને જણાવે છે કે, "ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ અને લાંબા ગાળાનું રોકાણ એ અલગ-અલગ ટાર્ગેટ, સમયમર્યાદા અને જોખમ ક્ષમતા સાથે અલગ-અલગ રોકાણના સ્વરૂપ છે. જાણો પ્રભુદાસ લીલાધરના ટેકનિકલ રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ વૈશાલી પારેખ કહે છે કે, "મુખ્ય મંત્ર એ છે કે 'મોટાભાગની સંપત્તિનું સર્જન ઇન્ટ્રા – ડે ટ્રેડિંગ દ્વારા નહીં પણ રોકાણ મારફતે થાય છે. ' કંપનીના ફંડામેન્ટલ્સ પર સંશોધન કર્યા પછી ટૂંકા ગાળામાં ક્વોલિટી સ્ટોક્સમાં રોકાણ કરવાથી પણ સારો નફો થઈ શકે છે. રોકાણકારોમાં રિસ્ક મેનેજમેન્ટનો અભાવ હોય છે. મોટાભાગના લોકો 'કટ લોસ' અને 'બુક-પ્રોફિટ'ની આંટીઘૂંટીથી અજાણ હોય છે. ટ્રેડિંગમાં ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઘણી વધારે છે. ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ સામાન્ય રીતે લાગણી, અફવા અને ટોળાની માનસિકતા પર આધારિત હોય છે.